અત્રે જણાવવાનું કે, સત્તાધારી પાલાંગ પ્રછારાથ પાર્ટી ના ચોનબુરી પ્રાંતના તેઓ સાંસદ છે. આ ઘટના સામે આવ્યા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. જો કે હજુ સુધી સાંસદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અત્રે નોધનીય છે કે, જયારે સંસદ સભા પૂર્ણ થયા પછી સાંસદ રોન્નાથેપ અનુવતને પત્રકારોએ સવાલ પૂછ્યો કે, આમ કેમ કર્યું તો તેઓ પહેલા તો ખચકાયા, પરંતુ ત્યારબાદ એક અલગ જ વાર્તા ઘડી નાખી. તેમણે કહ્યું કે કોઈ પૈસા અને મદદની માગણી કરતી કેટલીક તસવીરો મોકલી હતી અને બસ તેઓ તો તે તસવીરો જ જોતા હતાં. સાંસદે એમ પણ કહ્યું કે 'આ તસવીરોમાં બેકગ્રાઉન્ડને ધ્યાનથી જોઈને તેઓ એ જાણવાની કોશિશ કરતા હતાં કે આ છોકરી કોઈ જોખમમાં તો નથી ને. તેમણે કહ્યું કે, હું એ જોવાની કોશિશ કરતો હતો કે આ છોકરી કોઈ અપરાધીઓના કબ્જામાં તો નથી ને કે તેને આ રીતે જબરદસ્તીથી તસવીરો લેવા માટે મજબૂર કરી રહ્યા છે. ' સ્પીકરે બતાવ્યો અંગત મામલો સમગ્ર ઘટના બાદ સરકારી અધિકારીઓના જણાવ્યાં મુજબ, સાંસદને સ્પષ્ટીકરણ માટે બોલાવવામાં આવ્યાં પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી આગળ થાય તેવી શક્યતા નથી. આ બાજુ હાઉસ સ્પીકર ચુઆન લીક્પએ કહ્યું કે, આ એક વ્યક્તિગત મામલો છે. એવો કોઈ નિયમ નથી કે જે અહીં નિર્ધારિત કરે છે કે બેઠક કક્ષમાં સાંસદ શું જોઈ શકે અને શું નહીં.